વડોદરાઃ વડોદરા જિલ્લાના ઔદ્યોગિક ક્ષેત્રમાં આવેલ નંદેસરી નજીક અનગઢ ગામના લોકો ભૂગર્ભ જળના કારણે પરેશાન છે. દાયકાઓથી અહીંનું ભૂગર્ભ જળ દુષિત થવાના કારણે બોરિંગમાંથી પણ લાલ પાણી આવી રહ્યું છે. અને તેના કારણે રહીશોએ ટેન્કર મારફતે પાણી મંગાવવું પડે છે. અને રહીશોએ બેડા લઈને પાણી ભરવા જવું પડે છે. સ્થાનિકોની વ્યથા છે કે લાલ પાણીના કારણે અહીં કોઈ યુવતી લાલ પાનેતર પહેરીને પરણીને આવવા તૈયાર નથી. કારણે યુવાનો અહીંથી છોડીને અન્યત્ર વસવાનું વિચારી રહ્યા છે. ઔદ્યોગિક વસાહતના પાપે ખેતીને નુકસાન વડોદરા જિલ્લામાં ઔદ્યોગિક વસાહતો આવી રહી છે તે સારી બાબત છે. પરંતુ વિકાસનો ભોગ અનેક લોકો બની રહ્યા છે. વડોદરા જિલ્લાની નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં દાયકાઓ પૂર્વે કેટલીક બેજવાબદાર કંપનીઓ દ્વારા પ્રદુષિત પાણી કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ કર્યા વગર સુધુ ભૂગર્ભમાં ઉતારી દેવામાં આવતું હતું અને તેના કારણે ભૂગર્ભ જળ અત્યંત દુષિત બન્યા હતા. આસપાસના કિમીના વિસ્તારના ગામોમાં જ્યાં પણ બોરવેલ ખોદવામાં આવે તો તેમાંથી લાલ કલરનું પાણી નીકળવા માંડ્યું હતું. એટલુંનહીં તળાવ અને કુવામાં પણ તેની અસર જોવા મળી હતી. અસર દાયકાઓ બાદ આજે પણ જોવા મળી રહી છે. નંદેસરીને અડીને આવેલા અનગઢ ગામ ખાતે સ્થાનિકો પરેશાન થઇ ગયા છે. ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ લોકો લાલ પાણીના કારણે ખેતીમાં પણ વ્યાપક નુકસાન વેઠી રહ્યા છે. જ્યાં પણ બોરવેલ ખોદવામાં આવે ત્યાં લાલ દુષિત પાણી નીકળવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકોની વેદના છે કે અહીં કોઈ પણ યુવતી લગ્ન કરીને આવવા રાજી નથી કારણ કે પીવાના પાણીની સમસ્યાના કારણે તેઓએ દૂર સુધી બેડા લઈને પાણી ભરવા જવું પડે છે. ત્યારેસમસ્યાનો વહેલી તકે નિકાલ કરવામાં આવે અને ભૂગર્ભ જળમાં સુધારો કરવાના પ્રયાસો કરાય તેવી માંગ ઉઠી છે.